સરકારના આ પગલાથી એલેગ્રા, ડોલો, ઓગમેન્ટિન, અસ્થલિન, લિમ્સી, સેરિડોન, કોરેક્સ, કાલપોલ, અનવોન્ટેડ-બોતેર અને થાયરોનોર્મ જેવી લોકપ્રિય દવાની બ્રાન્ડને અસર થશે. આ બ્રાન્ડની દવાઓ સૌથી વધારે પ્રમાણમાં વેચાય છે અને વાર્ષિક વેચાણના આધારે આ દવાઓની પસંદગી કરવામાં આવી છે. સૂત્રોએ જણાવાનું કે, સરકારના આ નિર્ણયથી દવાની કિંમત પાંચ થી સાત ટકા સુધી વધી શકે છે. જાણકારોનું માનવું છે કે, ફાર્મા કંપનીઓએ અલગથી દવાના બેન્ચ પર ક્યુઆર કોડ છાપવા પડશે, પ્રિન્ટિંગ ખર્ચ વધતા દવાઓ મોંઘી થશે. શા માટે તેલના ઉત્પાદનમાં ઘટાડો કરી રહ્યું છે? શા માટે તેલના ઉત્પાદનમાં ઘટાડો કરી રહ્યું છે? પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોનું સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ અને રશિયા સહિતના સાથી દેશો, ઓપેક પ્લસ તરીકે ઓળખાતું જૂથ, જે વિશ્વના લગભગ ચાલીસટકા ક્રૂડ પ્રોવાઈડ કરે છે, રવિવારે નવી ઓઈલ આઉટપુટ ડીલ પર સંમત થયા હતા. સાઉદી અરેબિયા, જૂથનો સૌથી મોટો ઉત્પાદક, પુરવઠાને મર્યાદિત કરવા માટે વ્યાપક સોદાની ટોચ પર જુલાઈમાં તેના ઉત્પાદનમાં ઊંડો ઘટાડો કરશે, કારણ કે જૂથને તેલની કિંમતો ઘટવાનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ સુધી બેન્ચમાર્ક ક્રૂડના ભાવોએ તે લાભો ઘટાડ્યા છે, જ્યારે સોમવારે બ્રેન્ટ ફ્યુચર્સ બેરલ દીઠ માત્ર ઇઠ્યોતેર ડોલરની નીચે ટ્રેડિંગ કરે છે. જો કે, ફેરફારોમાં રશિયા, નાઇજીરીયા અને અંગોલા માટેના લક્ષ્યોને વર્તમાન ઉત્પાદન સ્તરો સાથે સુસંગત કરવાનો સમાવેશ થાય છે. આઉટપુટમાં કાપ મૂકવાના મુખ્ય કારણો: નબળી વૈશ્વિક માંગ અંગે ચિંતા: ચીનના ડેટાએ ભય પેદા કર્યો છે કે વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા તેલ ગ્રાહક દ્વારા કોરોનાવાયરસ લોકડાઉન પછીની આર્થિક રિકવરી ધીમી પડી રહી છે. રશિયન નાયબ વડા પ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે પણ "બજારની ગતિશીલતામાં હસ્તક્ષેપ" તરફ ધ્યાન દોર્યું છે, જે રશિયન તેલ પર પશ્ચિમી કિંમતની મર્યાદાનું વર્ણન કરવા માટે એક રશિયન અભિવ્યક્તિ છે. તાજેતરના મહિનાઓમાં અન્ય બેંકિંગ કટોકટીના ભયને કારણે રોકાણકારો જોખમી અસ્કયામતો જેવી કે તેલમાંથી બહાર નીકળી ગયા છે. તેલની કિંમતો માર્ચ બે હજાર બાવીસમાં ડોલર એકસો ઓગણચાલીસની ટોચથી ઘટીને બેરલ દીઠ સિત્તેરડોલરની નજીક આવી ગઈ હતી. વૈશ્વિક મંદીના કારણે તેલના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે. તેલની કિંમતો પણ તાજેતરમાં યુએસ ડેટ સીલિંગ વાટાઘાટો અંગેની ચિંતાઓને કારણે દબાણ હેઠળ આવી હતી, જોકે ગયા અઠવાડિયે દ્વિપક્ષીય સોદો થયા બાદ વિશ્વના સૌથી મોટા તેલ ગ્રાહક દ્વારા દેવાની ડિફોલ્ટની આશંકા ઓછી થઈ ગઈ છે.